શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ભારત બધાએ એવું વલણ અપનાવ્યું છે કે પાકિસ્તાન અને સાથે કોઇ અન્ય દેશમાં એશિયા કપનું આયોજન તાર્કિક કે આર્થિક રીતે શક્ય નથી. તેનું એક દેશ શ્રીલંકામાં આયોજન કરવું જોઈએ કારણ કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે તેમ નથી. સૂત્રએ જણાવ્યું હતું કે એવી પૂરેપૂરી શક્યતા છે કે આ વર્ષે એશિયા કપનું આયોજન કરવામાં નહીં આવે કારણ કે પાકિસ્તાન અને ભારતની મેચ વગર બ્રોડકાસ્ટર તેટલી રકમ આપી તેવી શક્યતા ઓછી છે. એસીસીને જે મેચ ચૂકવતા હતા તે મેચો વિના બ્રોડકાસ્ટરને તેટલી જ રકમ આપે તેવી શક્યતા ઓછી છે. ભારત આ માટે કરી રહ્યું છે તૈયારી સૂત્રએ જણાવ્યું હતું કે જો એશિયા કપનું આયોજન ન થાય તો ભારત ઘરઆંગણે એક સાથે ચાર કે પાંચ દેશોની ટૂર્નામેન્ટ યોજવાની તૈયારી પણ કરી રહ્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નિર્ણયથી પીસીબી સાથે આ બોર્ડના સંબંધો પર શું અસર પડશે તે જોવાનું રહેશે. પાકિસ્તાને તેના બે ટેસ્ટના પ્રવાસ દરમિયાન શ્રીલંકામાં કેટલીક વન ડે રમવાની ઓફરને પહેલેથી જ નકારી કાઢી છે. શ્રીલંકાએ એશિયા કપની તમામ મેચોની યજમાની કરવાની ઓફર કર્યા બાદ પાકિસ્તાનનું આ પગલું ભર્યું છે. સૂત્રએ જણાવ્યું હતું કે તાજેતરના ઘટનાક્રમથી પાકિસ્તાન તેની ટીમને વર્લ્ડ કપ માટે ભારત ન મોકલવા મજબૂર કરી શકે છે. જેમાં વિશ્વની બે શ્રેષ્ઠ ટીમો ટેસ્ટ ક્રિકેટમાં અંતિમ ઇનામ માટે સામસામે છે. આ મેચ સેવન જૂનથી લંડનના ધ ઓવલ ખાતે રમાશે. ભારત ભલે થોડી ફેવરિટ હોય પરંતુ કોઈએ ભૂલવું ન જોઈએ કે તે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ જીતી હતી. હવે તેઓ તટસ્થ સ્થળ પર ઘરથી દૂર તેમના પરિચિત શત્રુનો સામનો કરશે. ઓવલમાં કેવી સ્થિતિ હશે? આ કોઈનું પણ અનુમાન હોઈ શકે છે. પરંતુ જે ટીમ પરિસ્થિતિઓને શ્રેષ્ઠ રીતે અનુકૂલન કરી શકે છે અને તેમની તકોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે તે ટોચ પર આવશે. રસપ્રદ વાત એ છે કે, ઑસ્ટ્રેલિયા એઈટીન એઈટીમાં ઓવલ ખાતે રમ્યું હતું જે ઇંગ્લેન્ડમાં પ્રથમ વખતની ટેસ્ટ હતી. પરંતુ ત્યારથી તેઓ ઓવલ ખાતે રમાયેલી થર્ટી એઈટ ટેસ્ટમાંથી માત્ર સાત ટેસ્ટ જીતી શક્યા છે. તેથી ઓસ્ટ્રેલિયા ભલે ઓડ્સ-ઓન ફેવરિટ ન હોય પરંતુ પેટ કમિન્સની આગેવાની હેઠળની તેમની ટીમમાં તેમની પાસે ઘણો અનુભવ છે જેમાં ઘાતક હુમલો અને સ્ટીવ સ્મિથ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ?